તેઓ સુંદર છે, પ્રેરણાદાયક, જીવન ટકાવી રાખનાર. તેઓ પણ છે, જેમ કે તમે કદાચ છો તદ્દન જાગૃત, વધુ કે ઓછા ખરાબ. સેશેલ્સમાં, ઉદાહરણ તરીકે, માનવ પ્રવૃત્તિઓ અને હવામાન પરિવર્તન બાકી કોરલ્સ બ્લીચ કરે છે. ઓવરફિશિંગ થઈ ગયું છે માછલી સ્ટોક્સ પ્લમેટ માટે. જૈવવિવિધતા જોખમમાં છે. તો આપણે શું કરી શકીએ? ઠીક છે, સંરક્ષણનું કેટલાક સ્વરૂપ, દેખીતી રીતે. પ્રકૃતિ ખૂબ જ સ્થિતિસ્થાપક છે. જ્યારે દરિયાઇ વિસ્તારો વ્યૂહાત્મક રૂપે સુરક્ષિત છે, સંપૂર્ણ ઇકોસિસ્ટમ્સ પાછા ઉછાળી શકે છે. જો કે, દરિયાઇ બનાવવું સુરક્ષિત વિસ્તારો સરળ નથી. પ્રથમ, તમારી પાસે આ મુદ્દો છે ક્યાં રક્ષણ કરવું તે શોધી કા. આ કોરલ રીફ તેની સાથે ઓવરલેપ થાય છે આંતરરાષ્ટ્રીય માછીમારી માર્ગ, આ માછલી હેચરી સાથે છેદે છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. અને દરિયાઇ સુરક્ષા યોજનાઓ ધ્યાનમાં લેવું જ જોઇએ એક ક્ષેત્ર બીજાને કેવી રીતે અસર કરે છે. તે પછી, આ મુદ્દો છે બોર્ડ પર દરેક મેળવવામાં. દરિયાઇ અર્થતંત્રો ઘણીવાર માછીમારી અને પર્યટન પર આધાર રાખે છે. જો લોકોને લાગે કે તેઓ તેમનું કાર્ય કરી શકતા નથી, મેળવવાની કોઈ તક નથી તમારે જરૂરી લોકલ બાય-ઇન વિસ્તાર સફળ થવા માટે. દરિયાઇ સુરક્ષિત વિસ્તારો પણ લાગુ હોવું જ જોઈએ. તેનો અર્થ ખુદ સરકાર છે યોજનામાં રોકાણ કરવું જોઇએ. ટોકન સપોર્ટ તેને કાપશે નહીં. તે ઘણો. ટાપુ અને દરિયાકાંઠાના દેશોમાં સરકારો તેમના પાણીને સુરક્ષિત કરવા માંગતા હોય, પરંતુ ઘણી વાર આ રાષ્ટ્રો ખૂબ ઉચ્ચ દેવું છે અને પરવડી શકે તેમ નથી સંરક્ષણને પ્રાધાન્ય આપવું. જો આપણે એકલા પરોપકારી ડ પર આધાર રાખીએ દરિયાઇ સુરક્ષા માટે ભંડોળ પૂરું પાડવું, અમે નાના મળી શકે છે અહીં દરિયાઇ-સુરક્ષિત વિસ્તાર, ત્યાં બીજો એક નાનો. પરંતુ અમને વધુની જરૂર છે દરિયાઇ સુરક્ષિત વિસ્તારો ઝડપી, કાયમી અસર હોય છે. તેથી બરાબર શું કરે છે સ્માર્ટ સમુદ્ર સંરક્ષણ જેવો દેખાય છે? અમને પૈસા કેવી રીતે મળે છે, સરકારનું સમર્થન અને સાવચેતીભર્યું આયોજન તે ધ્યાનમાં લે છે બંને સ્થાનિક અર્થતંત્ર અને જટિલ ઇકોસિસ્ટમ્સ? અમે તમારી સાથે શેર કરવા માંગીએ છીએ એક બહાદુર વિચાર નેચર કન્ઝર્વેન્સીમાંથી. તે સંબોધવા માંગે છે આ બધી વસ્તુઓ એકમાં ઝૂકી ગઈ. તેઓ સમજી ગયા છે કે આયોજન ટાપુ અને દરિયાકાંઠાના દેશો દ્વારા ખૂબ જ એવી વસ્તુ છે જે તેમને સક્ષમ કરશે તેમના સંરક્ષણ લક્ષ્યો હાંસલ કરવા માટે. ટી. એન. સી. નો વિચાર છે કે આ દેવું ફરીથી ગોઠવવું, ભંડોળ અને રાજકીય ઇચ્છાશક્તિ પેદા કરવા માટે ખડકો, મેંગ્રોવ અને ફિશરીઝને સુરક્ષિત રાખવા માટે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા